તેનું કારણ રશિયાના હીરા અને અન્ય ઉત્પાદનો પર અમેરિકાના પ્રતિબંધો છે. ચાલી રહેલા યુદ્ધ પહેલા, રશિયા વિશ્વભરમાં યાકુતિયા પ્રાંતમાં સરકારી માલિકીની અલરોસા ખાણોમાંથી મેળવેલા રફ હીરાનું વેચાણ કરતું હતું. ઉદ્યોગ નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકાના પ્રતિબંધોને કારણે યુરોપિયન અને અન્ય દેશોએ પણ રશિયા પાસેથી રફ હીરાની ખરીદીનો બહિષ્કાર કર્યો છે. રશિયનો રેડ કાર્પેટ ફેલાવ્યું શોળ મેના રોજ, સાખા પ્રજાસત્તાકના રશિયન પ્રાંત યાકુટિયાનું એક સરકારી પ્રતિનિધિમંડળ સુરત આવ્યું અને હીરા માટે રેડ કાર્પેટ પાથર્યું. તેમના પ્રાંતના ફ્રી ટ્રેડ ઝોનમાં ડાયમંડ કટિંગ અને પોલિશિંગ ફેક્ટરીઓ માટે તેમણે હીરા ઉદ્યોગ માલિકોને રશિયામાં કારખાનાઓ ખોલવા માટે પણ પ્રલોભન આપ્યું, જ્યાં તેઓ સીધા ખાણોમાંથી સારી ગુણવત્તાના રફ હીરા મેળવી શકે. પ્રતિનિધિમંડળે હીરાના કારખાનાના કામદારો માટે કોઈ ટેક્સ બોજ વગરના વિધા અને વિઝા-ઓન-અરાઈવલનું વચન પણ આપ્યું હતું. નિષ્ણાતો કહે છે કે, આ મુલાકાતનું કારણ અલરોસા ખાણોમાંથી રફ હીરાના વેચાણમાં થયેલા ઘટાડા સાથે જોડાયેલું હોઈ શકે છે. વિજય માંગુકિયા, પ્રેસિડેન્ટ, ગુજરાત પ્રદેશે શેર કર્યું કે, રશિયન પ્રતિનિધિમંડળે અમને હીરાના કારખાનાઓ સ્થાપવા માટે તેમના દ્વારા પૂરી પાડવામાં આવેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સુવિધાઓ જોવા માટે મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું. હાલમાં, ઉદ્યોગ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને રોકાણની કોઈ શક્યતા નથી. અમે સુરતના ઉદ્યોગ જગતના લોકોને રશિયન ડેલિગેશનનો સંદેશો મોકલી તેમની રુચિ માંગી છે. પરંતુ આજદિન સુધી કોઈને હકારાત્મક જવાબ મળ્યો નથી. એકવાર યુદ્ધ સમાપ્ત થઈ જાય અને પરિસ્થિતિ સામાન્ય થઈ જાય, ઉદ્યોગ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રશિયામાં રોકાણ કરવા તરફ તેના પ્રથમ પગલાં લેશે. યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા હાલમાં મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. " 'ડ્રીમ' હીરા બજાર જ્યારે સરકાર ખાજોદ ખાતે આગામી ભવ્ય હીરાના વ્યવસાયમાં હીરાના વેપારને મુંબઈથી સુરત ખસેડવાની યોજના ધરાવે છે, જો યુદ્ધ ચાલુ રહેશે તો, ઉદ્યોગને અવરોધોનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે વધુ કારખાનાઓ બંધ થઈ શકે છે. સુરત ડાયમંડ એક્સચેન્જ કોમ્પ્લેક્સ, એક મુખ્ય હીરા વેપારનું હબ, ખાજોદ વિસ્તારમાં ડ્રીમ સિટીમાં ઉદ્ઘાટન થવાની તૈયારીમાં છે. આશરે સુરત અને મુંબઈમાં ચાર હજાર પાંચસો થી વધુ ઓફિસો છે, જે હીરાના વેપારીઓને વેચી દેવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, મુંબઈના ઘણા હીરાના વેપારીઓ છે, જેમણે પોતાનો વ્યવસાય વધારવા માટે સુરત ડાયમંડ બોર્સમાં દુકાનો પણ ખરીદી હતી. જ્યારે વેપાર શરૂ થઇ શકે ત્યારે કટિંગ અને પોલિશિંગ બાદ સુરત હીરાના વેપારનું કેન્દ્ર પણ બની શકે છે. આ ઉપરાંત, મુંબઈના ઘણા હીરા અને જ્વેલરી ઉત્પાદકોએ પણ સુરતમાં સચિન ખાતેના જ્વેલરી સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં હીરા અને જ્વેલરીના કારખાના શરૂ કરીને તેમનો વ્યવસાય વિસ્તાર્યો હતો. એક નિષ્ણાત કહે છે, "સુરત શહેર આંતરરાષ્ટ્રીય એર કનેક્ટિવિટી મેળવવાની રાહ જોઈ રહ્યું છે અને એકવાર તે શરૂ થશે, તો હીરા ઉદ્યોગ ધીમે ધીમે મુંબઈથી સુરત તરફ જશે. "